ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત: સોનાની જાળ પાણીમાં: અમે મધ્ય તાઈવાન યુનલીનનાં કૌહુ નામના ગામડામાં દરિયાથી દૂર રહેતા હતાં. મારા બચપણ દરમિયાન ગામડામાં એકસો ઘર હતાં. બે દુકાનદારનાં કુટુંબો અને ચાર ભિખારી કુટુંબો હતાં. બાકીના ખેડૂતો હતા. અમારા પૂર્વજો ખેડૂતો હતા. કુટુંબના થોડાક સભ્યો વાંચતા લખતા શીખ્યા હતા. આ ગામડામાં અમે કયારથી વસવાટ કર્યોં એની મને ખબર નથી. મારા પિતાજીએ એક વખત કહેલું, ''ભૂતકાળમાં આપણા પૂર્વંજો દરિયાઇ તોફાનમાં અહિંયા ફેંકાઇ આવ્યા હતા.'' મારી માં વિષે વાત કરતા હું રડી પડું છું. આવી માં મળવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. મારા જન્મ સમયે તે સાવ મૃતઃપાય બની ગઈ હતી, પણ છતાંય મારા જેવા સાવ અપંગ પુત્રનો સુંદર ઉછેર કરીને તે એક અસામાન્ય માં બની હતી. તેના એ જુસ્સાનો આજે પણ હું ગર્વ અનુભવું છું. મારી માં નું નામ લી યાન હતું. તે એક સાદી અને તદ્દન અભણ સ્ત્રી હોવા છતાં એક શક્તિશાળી ભલી માં હતી. તે મારા નિર્ધન પિતા સાથે પરણી ત્યારે તેની વય ચોવીસ વર્ષની હતી. વીસ વર્ષંમાં તેણે બાર બાળકોને જન્મ આપ્યો હતો. મારો નંબર આઠમો હતો. અમારા સૌનો ઉછેર કરવામાં જ તે ઘરડી બની ગઈ હતી. મારા જન્મ પહેલાં ત્રીજા નંબરની મારી બહેન માંદી પડી હતી. ડૉક્ટરને બોલાવવા પૂરતા પણ અમારી પાસે પૈસા ન હતા. આમ મારી ત્રીજા નંબરની બહેન નાઈલાજ મૃત્યુ પામી. મારી માં દીકરી ગુમાવ્યાનો શોક કરતી હતી ત્યાં હું જન્મ્યો. તે ખૂબ દુઃખી હતી, છતાં બીજા લોકોની જેમ હું પગભર થાઉં તેવા પ્રયત્નો કરવામાં તેણે કાંઈ મણા રાખી ન હતી. ઓગણીસો ચુમ્માંલીસમા મારા જન્મ સમયે તાઈવાન પર જાપાનનો બોમ્બમારો થતો હતો. દિવસ દરમિયાન મારી માં મને તેની પીઠ પર ઊંચકીને સંતાતી-સંતાતી એક ગામડેથી બીજે ગામડે રખડતી. તે સમયે પરિસ્થિતિ ખૂબ તંગ હતી. યુદ્ધનો અંત આવતાં મારા માટે તે ડૉક્ટરની શોધ કરવા લાગી. કલાકો સુધી બળબળતા તાપમા માં મને પીઠ પર ઊંચકી મારા ઇલાજ માટે રઝળતી. તેનો પસીનો મારી છાતીને સ્પર્શતો. હું પણ પસીનાથી રેબઝેબ થઇ જતો. ઘણીવાર અમને કાંઈક આશા જણાતી, પણ, કમનસીબે દરેક ડૉક્ટર પાસેથી એકજ જવાબ મળતો, ''કાંઈજ ઇલાજ થઈ શકે તેમ નથી.'' કંટાળ્યા વગર મા તો એક હૉસ્પિટલથી બીજી હૉસ્પિટલ મને ઊંચકીને ફેરવતી, પણ બધાજ પ્રયત્નો વ્યર્થ નિવડ્યા. મારી માએ દર વર્ષે એક બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ મારા જન્મ પછી છ વર્ષને અંતરે નવમું બાળક જન્મ્યું હતું. આવી સગર્ભાવસ્થામાં મને આમ ઊંચકીને મા ફરતી ત્યારે હું